હેમા માલિનીએ ચાર બાળકોના પિતા ધર્મેન્દ્ર સંગ લગ્ન કર્યા, જીવનભર દુર રહેવું પડ્યું, વર્ષો પછી ડ્રીમ ગર્લે કર્યો ખુલાસો. ધર્મેન્દ્ર અને હેમા માલિની લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતાં એક્ટ્રેસને વર્ષો સુધી તેના પતિ ધર્મેન્દ્રથી દૂર રહેવું પડ્યું છે. આ રાજ પરથી વર્ષો પછી હેમા માલિનીએ પડ઼દો ઉઠાવ્યો છે. બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની છેલ્લા થોડા સમયથી કોઇને કોઇ કારણથી ચર્ચામાં છે. ત્યારે હેમા માલિનીએ તાજેતરમાં ધર્મેન્દ્ર સાથેના તેના લગ્ન જીવન અંગે ખુલાસો કર્યો છે. હેમા માલિની અને ધર્મેન્દ્રની પ્રેમગાથા જગજાહેર છે. સૌકોઇ એ વાતથી વાકેફ છે કે બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પરિણીતી અને ચાર બાળકોના પિતા હોવા છતાં ડ્રીમ ગર્લ હેમા માલિનીના પ્રેમમાં પડ્યા હતા. એવું કહેવાય છે કે ધર્મેન્દ્રએ પહેલી પત્નીને તલાક આપ્યા વિના ધર્મ બદલીને હેમા માલિની સાથે લગ્ન કરી લીધા છે. હેમા માલિની અને ધર્મેન્દ્ર બે પુત્રીના માતા-પિતા છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની લગ્નના બંધનમાં બંધાઇ ગયા છતાં એક્ટ્રેસને વર્ષો સુધી તેના પતિ ધર્મેન્દ્રથી દૂર રહેવું પડ્યું છે. આ રાજ પરથી વર્ષો પછી હેમા માલિનીએ પડ઼દો ઉઠાવ્યો છે. હેમા માલિની અને ધર્મેન્દ્રની મેરેજ લાઇફ, હેમા માલિની અને ધર્મેન્દ્રએ વર્ષ ઓગણીસોએંસીમાં લગ્ન કરી પોતાની પ્રેમને મંઝીલ આપી હતી. તે સમયે ધર્મેન્દ્ર પરિણીતી અને ચાર બાળકના પિતા હતા. હેમા માલિનીએ તાજેતરમાં લહરે રેટ્રો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ધર્મેન્દ્રથી દૂર રહીને તેની બંને પુત્રીઓનો ઉછેર કરવાના નિર્ણયે તેને નારીવાદી આઇકોન બનાવી દીધી છે. 'આપેમેળે જે થતું હોય તેને સ્વીકારવું પડે છે' આ સાથે હેમા માલિનીએ ધર્મેન્દ્રથી દુર રહેવા પર કહ્યું હતું કે, 'આ થઇ જાય છે. આપેમેળે જે થતું હોય તેને સ્વીકારવું પડે છે, કોઇને પણ એવું નહીં લાગે કે તે તેનું જીવન આ પ્રકારે વિતાવવા માંગે છે'. વધુમાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે, દરેક સ્ત્રી તેના પતિ, બાળકો અને પરિવાર સાથે એક નોર્મલ લાઇફ ઇચ્છે છે. પરંતુ હવે ક્યાંકને ક્યાંક તે આ રસ્તેથી દૂર થઇ ગઇ છે. મને તે માટે ખરાબ લાગણી નથી, પરંતુ હું તે માટે નારાજ છું. જો કે, હું મારી લાઇફમાં ખુશ છું. 'ભગવાન અને ગુર માંની કૃપાથી બધુ થયું છે'. હેમા માલિની આ સિવાય કહ્યું હતું કે, 'ભલે ઘર્મેન્દ્ર તેની પાસે ન રહ્યા, પરંતુ તેને હંમેશા તેમની ચિંતા સતાવી રહી હતી કે, તેમના લગ્ન જલ્દી થઇ જવા જોઇએ. ત્યારે હું તેમને કહેતી હતી કે જ્યારે સમય આવશે એટલે થઇ જશે. ધર્મેન્દ્ર ભલે અમારી સાથે ન રહ્યા હોય, પણ તેઓ હંમેશા અમારી પડખે ઉભા રહ્યા છે'. આ ઉપરાંત હેમા માલિનીએ કહ્યું કે, 'ભગવાન અને ગુર માંની કૃપાથી થયું છે'. જ્યારે કેટરીના કૈફ બોલિવૂડ છોડીને બીજી કારકિર્દીની શોધવા મજબૂર બની હતી.